સમુદ્રમાં તરતા જંગી એરપોર્ટ, સોલાર પ્રોજેક્ટ શરૂ કરી જમીન બચાવવાજ હેમત, ટેકનોલોજી આવશે. જાહેર વાહન વ્યવસ્થા ફ્રી થઈ જાય તેવું બને. સંદેશા વ્યવહાર લગભગ ફ્રી જેવો જ હશે. આ આગાહી મેં એકવીસ મી સદી ના આરંભમાં શું થાય તેવા એક અખબારી લેખમાં લખી હતી. નેનો ટેકનોલોજી ખૂબ વધશે અને રોબોટિક્સ ધેરે ઘરે ઉપયોગમાં હશે. ઘરકામ રોબોટ કરશે. ખેતી, ઉદ્યોગો, ઓફિસ, સંરક્ષણ,પોલીસ,વાહન વ્યવસ્થા માં રોબોટ હશે જ. મોટાભાગે પાકિસ્તાનના ટુકડા થઈ ગયા હશે. સિંઘ, બલુચિસ્તાન વગેરે નવા દેશોને ભારત મદદ કરી સ્વતંત્ર બનશે. ભારતમાં ભળી જાય તેમ પણ બને. એટોમિક હમલાની પણ શક્યતા છે જ. તો પછીનું વિશ્વ કહી શકાય નહિ. ચોપન આફ્રિકન દેશોનું એક સંગઠન ભારતના અધ્યક્ષ પદે રચાય તેમ બને, અને તેને એક સમૂહ તરીકે સલામતી સમિતિમાં સભ્ય તરીકે લેવાય તે માટે ભારત આગેવાની લેશે. શાકાહાર, વેગન માં માનતા લોકો વધે. ઈશ્વર, આત્મા, બ્રહ્માંડના સંચાલન ના રહસ્યો ખોલવા માટે સંશોધનો થાય અને શોધવા વિજ્ઞાન અને અધ્યાત્મ નજીક આવશે. કમ્પ્યુટર ના નવા આવિષ્કાર તેમાં મોટી મદદ કરી શકે. આ શોધ આગળ નહિ વધી શકે તેની ખાતરી છે. લોકશાહી નામે લોકોના જીવનમાં કશું છૂપુ કે અંગત નહિ રહે. ટેકનોલોજી ભયજનક રીતે દરેકના જીવનનો કબજો લેશે. ચીન ભયજનક રીતે આગળ વધશે. ચાઈના એક બેદર્દ, નિર્દય વેપારી છે. ચાઈનાની વ્યાપારી તાકાતનો અંદાજો લગાવવા આ આંકડા વાંચો- વર્ષ માં ચીન વિશ્વના ઉત્પાદનમાં ત્રણ ટકા ઉત્પાદન હિસ્સો ધરાવતું હતું. હવે એનો સિંહફાળો છે પૂરા પચીસ ટકા . આ સિવાય એવી અગણિત વસ્તુઓ છે જેમાં ચીનની મોનોપોલી છે. સોની, માઈક્રોસોફ્ટ, એપલ, કેનોન જેવી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનાં ઉત્પાદનો ચીનમાં બનાવડાવે છે. જો ચીની માલનો બહિષ્કાર કરવા બેસો તો ઘરમાંથી ત્રીસ ટકા વસ્તુઓ ફેંકી દેવી પડે. માત્ર ચીની વસ્તુઓનો ત્યાગ કરવો એ તો નકારાત્મક રસ્તો છે. અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણે એવું શું કરવું જોઈએ કે ચીન પાછળ રહી જાય? સૌ પ્રથમ આપણે બચતથી શરૂઆત કરીએ. ભારતનું ધન ક્રૂડ ઓઈલમાં સૌથી વધુ ખર્ચાય છે. જો આ બીલમાં ઘટાડો થાય તો એ પૈસા બચે. આ માટે દેશનાં વાહનો પર રા ધ્યાન આપવું પડશે. અતિ ઝડપે આવનારાં દશેક વર્ષમાં ઈલેકટ્રીક વાહનોની સંખ્યા કુલ વાહનોનાં પચાસ ટકા થી પંચોતેર ટકા કરવો પડશે. ખંધા ચીને અગમચેતી વાપરી સાત અબજ બેરલ ક્રૂડ ખરીદી, તેનો સ્ટોક કરી લીધો છે. ભારતને પ્રચંડ સોલર,ગ્રીન એનર્જી વિકસાવી પડશે. આત્મ નિર્ભર બનવા મોટા પગલાં લાવશે. આફ્રિકા ખંડના ચોપન દેશોમાંથી મોટાભાગના દેશો ગરીબ છે. ચીને લાંબા ગાળાની વ્યૂહ રચના તરીકે આફ્રિકામાં મોટા પાયા પર "